તેમણે કહ્યું કે સ્વર્ગમાં બધું સારું છે, પણ કોઈ ચતુર, શાણો અને રમુજી માણસ નથી, એટલે બહુ કંટાળો આવે છે. જો અકબર બાદશાહ એવો કોઈ માણસ મોકલી આપે તો સારું થાય. આ સાંભળીને રાજા ઊંડા વિચારમાં પડી ગયો. તેણે વિચાર્યું: કોને મોકલવું? ઘણા લોકોના નામ મનમાં આવ્યા, પણ બિરબલ સિવાય કોઈ યોગ્ય લાગ્યું નહીં. પણ તેને ખબર હતી કે એ માટે બિરબલને મરવું પડશે. રાજા દુઃખી થઈ ગયો.એક શાણા અને ચતુર માણસ ગુમાવવો સરળ નહતો. છતાં, પિતાની ઈચ્છા માટે તેણે મન મજબૂત કરીને નિર્ણય લીધો. બિરબલ, હું જાણું છું કે તું મને ખૂબ ચાહે છે અને મારા માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર છે, ખરું ને? બિરબલ રાજાની વાત સમજી ન શક્યો, પણ જવાબ આપ્યો: તારે મારા પિતાને સાથ આપવા સ્વર્ગમાં જવું પડશે. તેમને ત્યાં ખૂબ જ એકલું લાગે છે. બિરબલ તરત સમજી ગયો કે આ કોઈ કાવતરૂં છે. તેણે વિનમ્રાથી કહ્યું: જહાંપનાહ, હું તૈયાર છું, પણ મને થોડી તૈયારી માટે સમય જોઈએ. તું આટલું મોડુ કામ કરવા તૈયાર થયો છે, તો હું તને એક અઠવાડિયાનો સમય આપું છું. બિરબલ ચિંતામાં પડી ગયો. તેણે ઘણો વિચાર કર્યો અને એક ઉપાય શોધી કાઢ્યો. તેણે પોતાના ઘરના નજીક એક ઊંડો ખાડો ખોદ્યો -જે તેની કબર તરીકે કામ આવી શકે. ખાડામાંથી એક ભોંયરું બનાવ્યું જે તેના ઘરના રૂમમાં ખૂલે છે. પછી તે દરબારમાં ગયો અને રાજાને કહ્યું: હજૂર, હવે હું સ્વર્ગમાં જવા તૈયાર છું, પણ મારી બે શરતો છે. અકબર ખુશ થઈ ગયો અને પૂછ્યું: પહેલી શરત-મને મારા ઘર પાસે જ દફનાવવો. બીજી મને જીવતો દફનાવવો, જેથી હું સ્વર્ગમાં જીવતો જ જઈ શકું અને તમારા પિતાને આનંદથી સાથ આપી શકું. અકબરને શરતો યોગ્ય લાગી. બીજે દિવસે બિરબલ તેના ઘરના ખાડામાં જીવતો દફનાવાયો. ભોંયરા મારફતે તે ઘરમાં પાછો આવી ગયો. છ મહિના સુધી બિરબલ ઘરમાં જ રહ્યો. દાઢી અને વાળ વધાર્યા. રાત્રે છુપાયા વેશ રાજ્યમાં ફરતો રહ્યો અને આખું કાવતરૂં કોણે ઘડ્યું તે શોધી કાઢ્યું. છ મહિના પછી, વેરવિખેર વાળ અને લાંબી દાઢી સાથે તે દરબારમાં પહોંચ્યો. કોઈએ તેને ઓળખ્યું નહીં. પરવાનગી લઈને અંદર ગયો અને રાજાને ઓળખ આપી. બિરબલ! તું ક્યાંથી આવ્યો? તું તો સ્વર્ગમાં ગયો હતો ને? હા, નામદાર. હું તમારા પિતાજી સાથે જ હતો. તેઓ મારી સેવાથી ખૂબ જ ખુશ થયા અને મને અહીં આવવાની રજા આપી. તેમણે મારા માટે કોઈ